તમારા મુખ્ય દ્વારનો રંગ લાકડું, ચાંદી અથવા સફેદ હોવો જોઈએ. મુખ્ય દ્વાર પર ઘેરો વાદળી, લાલ અને કાળો રંગ ટાળવો શ્રેષ્ઠ છે. ઘેરા રંગના મુખ્ય દરવાજાને ક્યારેય પસંદ કરશો નહીં. ભૂગર્ભ જળ સંગ્રહ. મજબૂત જળ તત્વ કોસ્મિક એનર્જીને સુનિશ્ચિત કરવા માટે, ભૂગર્ભ જળ સંગ્રહ ઘરના ઉત્તર પૂર્વ ભાગમાં બનાવવો જોઈએ. ભૂગર્ભ જળ સંગ્રહ માટે યોગ્ય દિશા પસંદ કરો. શૌચાલય અને સેપ્ટિક ટાંકીઓ. તમારા ઘરના ઈશાન ખૂણામાં સેપ્ટિક ટાંકી અને શૌચાલય ક્યારેય બનાવવું જોઈએ નહીં. શૌચાલય ઘરના પ્રવેશદ્વારની નજીક બનાવવું જોઈએ. પૂજા રૂમ પાસે શૌચાલય બનાવો. માસ્ટર બેડરૂમનું પ્લેસમેન્ટ. પૂર્વ તરફના ડુપ્લેક્સ ઘરો માટેની વાસ્તુ અનુસાર, માસ્ટર બેડરૂમ પ્રથમ સ્તર પર હોવો જોઈએ. ડુપ્લેક્સ હોમ માસ્ટર બેડરૂમ માટે ઉપરનો દક્ષિણપશ્ચિમ ખૂણો શ્રેષ્ઠ છે કારણ કે તે સુખદ ઊર્જા આકર્ષે છે અને તકરાર ઘટાડે છે. ડુપ્લેક્સ હાઉસ માટે કોર્નર માસ્ટર બેડરૂમ. બાલ્કનીની યોગ્ય સ્થિતિ. પૂર્વ તરફના ડુપ્લેક્સ મકાનમાં, બાલ્કની હંમેશા ઉપરના માળે હોવી જોઈએ અને ઉત્તરપૂર્વ તરફ મુખ હોવું જોઈએ. વિશિષ્ટ અભિગમ તમને તમારા ઘરમાં યોગ્ય સૂર્યપ્રકાશ લાદવા લાવવામાં મદદ કરશે. ઉપરાંત, કોઈપણ પ્રકારની નકારાત્મકતાને પ્રવેશતા અટકાવવામાં મદદ કરશે. ઉપરના માળે સની ખુલ્લી બાલ્કની. પૂર્વ તરફના ડુપ્લેક્સ હાઉસ માટે વાસ્તુ આઉટડોર કલર કોમ્બિનેશન. ભવ્ય પીચ અને વ્હાઇટ. પૂર્વ તરફના ડુપ્લેક્સ હાઉસ માટે, સુંદર પીચ અને સફેદ રંગની બહારનું સંયોજન આકર્ષક અને અત્યાધુનિક દ્રશ્ય આકર્ષણ આપે છે. તે બાહ્ય રવેશમાં શાંતિ અને આકર્ષણની ભાવના ઉમેરે છે જ્યારે શુદ્ધતા અને અભિજાત્યપણુનો સ્પર્શ આપે છે. સૌંદર્યલક્ષી સુખદ વિરોધાભાસ એકંદર મૂડને વધારે છે અને બહારના વાતાવરણમાં શાંતિનો સ્પર્શ ઉમેરે છે. સફેદ અને ઈન્ડિગો. પૂર્વ તરફના ડુપ્લેક્સ હાઉસની બહારના ભાગ માટે સફેદ અને ઈન્ડિગોનું રંગ સંયોજન ઉત્તમ સુંદરતા અને આધુનિક સંસ્કારિતાનું અદ્ભુત મિશ્રણ છે. તાજા અને કાલાતીત પૃષ્ઠભૂમિ સ્વચ્છ સફેદ ટોન દ્વારા પ્રદાન કરવામાં આવે છે, જ્યારે ઘેરા ઈન્ડિગો ઉચ્ચારો ઊંડાઈ અને વૈભવીનો સંકેત આપે છે. જ્યારે તેઓ ભેગા થાય છે ત્યારે તેઓ દૃષ્ટિની આકર્ષક અને અવિસ્મરણીય અસર બનાવે છે, જે ફેશનેબલ અને સર્વોપરી આઉટડોર સેટિંગ શોધી રહેલા લોકો માટે શ્રેષ્ઠ પસંદગી બનાવે છે. સફેદ અને પીળો. સફેદ અને પીળા રંગમાં રંગવામાં આવેલ પૂર્વ તરફનું ડુપ્લેક્સ ઘરની બહારનો ભાગ આનંદ અને મિત્રતા ફેલાવે છે. જ્યારે તેજસ્વી પીળા ઉચ્ચારો સમગ્ર ડિઝાઇનને જોમ અને હૂંફ આપે છે, ત્યારે સ્વચ્છ સફેદ ટોન ખાલી સ્લેટ આપે છે. એકસાથે, તેઓ એક સુંદર અને આનંદપ્રદ આઉટડોર વિસ્તાર બનાવે છે. લાલ અને ક્રીમી સફેદ. પૂર્વ તરફના ડુપ્લેક્સ ઘરની બહાર લાલ અને ક્રીમી સફેદ રંગમાં રંગવામાં આવે ત્યારે અદભૂત અને ક્લાસિક દેખાશે. જ્યારે ક્રીમી સફેદ ટોન લાવણ્ય અને અભિજાત્યપણુ